આ કાર્યક્રમમાં બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંને દેશોની મિત્રતા પર તેમને ગર્વ છે. તેમણે કહ્યું, "તે આપણા બધા ભારતીયો માટે ગૌરવની વાત છે કે અમને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબ ઉર રહેમાનને ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માન કરવાની તક મળી છે. " વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ શક્તિ બાંગ્લાદેશને ગુલામ રાખી શકે નહીં. તેમણે કહ્યું કે જેમને બાંગ્લાદેશના અસ્તિત્વ પર શંકા છે. બાંગ્લાદેશની જનતાએ તેમને ખોટું સાબિત કર્યું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીમાં ઇન્દિરા ગાંધીનું યોગદાન જાણીતું છે.